આ માન્યતા છે કે બકરી એક સંપત્તિ છે અને એક છોકરી જવાબદારી છે. મારી સંસ્થા એજ્યુએટ ગર્લ્સ આને બદલવાનું કામ કરે છે. અને આપણે કેટલાકમાં કામ કરીએ છીએ સૌથી મુશ્કેલ, ગ્રામીણ, દૂરસ્થ અને આદિજાતિ ગામો અને અમે તે કેવી રીતે કરીશું? અમે પ્રથમ અને અગ્રણી શોધીએ છીએ યુવાન, જુસ્સાદાર, શિક્ષિત યુવા એ જ ગામોમાંથી. પુરુષો અને સ્ત્રીઓ બંને. અને અમે તેમને ટીમ બાલિકા કહીએ છીએ, બાલિકાનો અર્થ ફક્ત બાળકી, તેથી આ એક ટીમ છે જે આપણે બનાવી રહ્યા છીએ છોકરી બાળક માટે અને તેથી એકવાર અમે ભરતી કરીશું અમારા સમુદાય સ્વયંસેવક અમે તેમને તાલીમ આપીએ છીએ, અમે તેમના માર્ગદર્શક છીએ, અમે તેમને હાથથી પકડી રાખીએ છીએ. ત્યારે જ આપણું કામ શરૂ થાય છે અને પ્રથમ ટુકડો અમે કરીએ છીએ. દરેક એક છોકરીને ઓળખવા વિશે છે જે શાળામાં નથી જતો. પરંતુ આપણે જે રીતે કરીએ છીએ થોડી જુદી અને ઉચ્ચ તકનીક છે, ઓછામાં ઓછા મારા મતે અમારા દરેક ફ્રન્ટલાઈન સ્ટાફ સ્માર્ટફોન છે. તેની પોતાની એજ્યુએટ ગર્લ્સ એપ્લિકેશન છે અને આ એપ્લિકેશનમાં બધું છે, જે અમારી ટીમને જોઈએ. તેમાં ક્યાં ડિજિટલ નકશા છે તેઓ મોજણી કરાવી રહ્યા છે, તેમાં સર્વે છે, બધા પ્રશ્નો, કેવી રીતે શ્રેષ્ઠ પર થોડી માર્ગદર્શિકાઓ સર્વે કરવા માટે, જેથી ડેટા જે આપણી પાસે આવે રીઅલ ટાઇમમાં છે અને સારી ગુણવત્તાની છે. તેથી સજ્જ, અમારી ટીમો અને અમારા સ્વયંસેવકો ઘરે ઘરે જવા દરેક એક ઘરના દરેક એક છોકરી શોધવા માટે જે ક્યાં તો આપણે ક્યારેય નામ નોંધાવ્યું ન હતું અથવા શાળા છોડી દીધી છે. અને કારણ કે અમારી પાસે આ ડેટા છે અને ટેકનોલોજી ભાગ, ખૂબ જ ઝડપથી અમે જાણી શકીએ છીએ છોકરીઓ કોણ છે અને તેઓ ક્યાં છે, કારણ કે આપણા દરેક ગામો ભૌગોલિક છે, અને આપણે ખરેખર કરી શકીએ છીએ કે માહિતી બિલ્ડ ખૂબ જ ઝડપથી. અને તેથી એકવાર આપણે જાણી લઈએ કે છોકરીઓ ક્યાં છે. અમે ખરેખર પ્રક્રિયા શરૂ કરીએ છીએ તેમને પાછા શાળામાં લાવવાનો અને તે ખરેખર ન્યાયી છે. અમારી સમુદાય એકત્રીકરણ પ્રક્રિયા, તે ગામ બેઠકોથી શરૂ થાય છે, પડોશી બેઠકો, અને તમે જુઓ છો તેમ, વ્યક્તિગત પરામર્શ માતાપિતા અને પરિવારોના, છોકરીઓ લાવવા માટે સમર્થ થવા માટે પાછા શાળામાં અને આ કંઈપણ લઈ શકે છે. થોડા અઠવાડિયાથી થોડા મહિનાઓ સુધી અને એકવાર અમે છોકરીઓ લઈએ છીએ શાળા પ્રણાલીમાં, અમે શાળાઓ સાથે પણ કામ કરીએ છીએ ખાતરી કરવા માટે કે શાળાઓ તમામ મૂળભૂત માળખાકીય સુવિધાઓ છે જેથી છોકરીઓ રહી શકશે.